બરમુડા ટ્રાયેંગલ રહસ્ય કે અફવા? વાંચો વિજય ખૂંટ "શોર્ય" ની કલમે પૃથ્વી પર સમુદ્રમાં એક એવી જગ્યા છે કે ત્યાથી પસાર થતા જહાજ અને આકાશના વિમાનો પણ અદ્રશ્ય થઇ જાય છે. આ જગ્યા બર્મુડા ટ્રાયેન્ગલ અથવા ત્રિભંગ અથવા ત્રિકોણના નામથી જાણીતી છે. આ જગ્યા સાથે પુરાણ, પ્રાચીન વિશ્વ અને આધુનીક વિશ્વની ઘટનાઓ જોડાયેલ છે. આવો મિત્રો બર્મુડા ટ્રાયેન્ગલનો એનાલીસીસ કરીએ અને જાણીએ કે રહસ્ય છે કે અફવા .લોકેશન ઉત્તર પશ્ચિમ એટલાન્ટીક મહાસાગર બર્મુડા ટાપુ, અમેરીકાના ફ્લોરિડા રાજ્યના મિયામી શહેર અને પ્યુર્ટો રીકો રાજ્યના સાન જુઆન ટાપૂ ને જોડતા જે ત્રીકોણ બને છે. જેને બર્મુડા ટ્રાએન્ગલ કહેવાય છે. અમેરીકા, યુરોપ, કેરેબિયા બંદરો પર જવા માટે સૌથી વ્યસ્ત જળમાર્ગો પેકી એક છે. પૌરાણીક માન્યતા શિવપુરાણમાં એવો ઉલ્લેખ છે કે કોઇ પણ ઉર્જા અન્ય ઉર્જામાં પરિવર્તિત થતી હોય છે. આ એક પુર્ણપણે આધ્યાત્મિક ઉર્જા છે. પૃથ્વી પરની કોઇ ચોક્કસ જગ્યાએ ઉર્જાએ એકત્રિત થતી હોય તો, એ આ જગ્યા હોઇ શકે છે. કોઇ દૈવી શક્તિનો ચમત્કાર પણ માનવામાં આવે છે કેમ કે અહિ સમાયેલા જહાજો આજ સુધી પાછા વળ્યાહોય એવુ શક્ય બન્યુ નથી. પૃથ્વી ગળી જતી હોય એવુ પણ માનવામાં આવે છે. વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે કે હનુમાનજીને લંકા જતી વખતે લંકાથી સાત યોજન દુર રોકવામાં આવેલા આ જગ્યાએ બર્મુડા ત્રિભંગ ,પણ ભૌગોલીક રીતે હાલ તો આ વાત શક્ય નથી. શ્રીલંકા અને આ ટ્રાયેન્ગલ વચ્ચે ઘણુ બધુ અંતર છે. દુનિયાની સફરે નિકળેલા ક્રિસ્ટોફર કોલંબસ જ્યારે અહિથી પસાર થયો ત્યારે તેને પણ આવો કઈક અનુભવ થયો હશે. તેણે એક અદ્રભુત પ્રકાશ જોયો હતો અને તેઓ પણ પોતાની એક બુકમાં લખે છે આકાશ થી સમુદ્ર સુધી આગની જવાળાઓ દુરથી દેખાતી હતી. અહિના આજુબાજુના વિસ્તારોમાં હોકાયંત્ર પણ કામ કરતુ બંધ થઇ ગયુ હતુ. અમેરીકાની અવકાશ સંશોધન સંબંધિત સંસ્થા નાસાના અવકાશયાત્રી રહિ ચુકેલા ટેરી વર્ટસ જણાવે છે કે તેમને પહેલ અવકાશ અભિયાનમાં જ આ વાતનો અનુભવ થયો હતો. તેઓ સુવા જઈ રહ્યા હતા. ત્યારે તેમની આંખો ભયંકર સફેદ કિરણોને લીધે અંજાઇ ગઇ હતી. ટેરી વર્ટસ કહે છે કે આકાશમાં એક એવો વિસ્તાર છે કે, જેને બર્મુડા ટ્રાઇએન્ગલ કહેવામાં આવે છે. અવકાશમાં બર્મુડા ટ્રાઇએન્ગલ એટલાન્ટિક મહાસાગર અને બ્રાઝીલ ઉપરના આકાશમાં છે. આ વિસ્તારમાંથી જ્યારે અવકાશયાન અથવા સ્પેશ સ્ટેશન પસાર થાય છે. ત્યારે કમ્પ્યુટર રેડિએશનનો શિકાર બની જાય છે.